આભાર. જો તમે દૂધની શોધમાં દુકાન પર જાઓ છો, તો ત્યાં પસંદગી માટે ઘણા બધા ઉત્પાદનો છે. ત્યાં ડેરીનું દૂધ છે, પરંતુ છોડ આધારિત ઉત્પાદનો પણ છે. છોડને દૂધ જેવી વસ્તુમાં ફેરવવા માટે, તેને કાં તો પલાળીને, નીકાળી, ધોઈને જાડી પેસ્ટમાં દળવી જોઈએ, અથવા સૂકવી, અને દળીને લોટમાં કરવી. પછી છોડની પેસ્ટ અથવા લોટને વિટામિન્સ અને મિનરલ્સથી મજબૂત બનાવવામાં આવે છે, સ્વાદ, અને પાણી સાથે ભળે છે. પરિણામ વિકલ્પોની આડશ છે જે પશુઓના દૂધના ઘણા ગુણો ધરાવે છે. તો તમારા માટે કયું દૂધ ખરેખર શ્રેષ્ઠ છે? ચાલો આપણે કેટલાક સૌથી લોકપ્રિય દૂધ પર એક નજર કરીએ: ડેરી, બદામ, સોયા કે ઓટ? તે સરેરાશ પુખ્ત વયના લોકો માટે જરૂરી દૈનિક પ્રોટીન આશરે પંદર ટકા છે, આશરે દસ ટકા કાર્બોહાઈડ્રેટ અને બે થી પંદર ટકા ચરબી. મોટાભાગના છોડ આધારિત દૂધમાં ડેરી દૂધ કરતાં ઓછા કાર્બોહાઇડ્રેટ હોય છે. તેમાં ચરબી પણ ઓછી હોય છે, પરંતુ ઘણી વખત "સારી ચરબી" તરીકે ઓળખાય. જ્યારે, ડેરી દૂધમાં જોવા મળતા આરોગ્યપ્રદ પોષક તત્વો વિટામિન ડી અને કેલ્શિયમ મોટાભાગના છોડ આધારિત દૂધમાં કુદરતી રીતે થતા નથી. આપણા છોડ આધારિત દૂધને વધુ નજીકથી જોતાં, બદામ અને ઓટ બંનેમાં ડેરીની સરખામણીમાં પ્રોટીન ઓછું હોય છે. પરંતુ જ્યારે બદામના દૂધમાં ચારમાંથી ઓછામાં ઓછા પોષક તત્વો હોય છે, ઓટ મિલ્ક બીટા-ગ્લુકેન્સથી ભરપૂર છે, જે એક સ્વસ્થ પ્રકારનો ફાઇબર છે. અન્ય છોડના દૂધની સરખામણીમાં તેમાં પુષ્કળ કાર્બોહાઇડ્રેટ્સ પણ હોય છે- ક્યારેક ડેરી દૂધ જેટલા. તે દરમિયાન, સોયા દૂધમાં ગાયના દૂધ જેટલું પ્રોટીન હોય છે અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત પણ છે. સોયાબીનમાં આઇસોફ્લેવોન હોય છે, જે લોકો માનતા હતા કે, તે હોર્મોનલ અસંતુલનને ઉત્તેજિત કરી શકે છે એસ્ટ્રોજનના કાર્યની નકલ કરીને. પરંતુ આખરે, સોયા દૂધમાં બહુ ઓછી માત્રામાં આઇસોફ્લેવોન્સ હોય છે, જે આપણા શરીર પર એસ્ટ્રોજન કરતાં ઘણી નબળી અસર કરે છે. વ્યક્તિગત સંજોગો પર આધાર રાખીને, આમાંથી એક દૂધ સ્પષ્ટ વિજેતા હોઈ શકે છે: જો તમે લેક્ટોઝ અસહિષ્ણુ છો, તો છોડ આધારિત દૂધ આગળ વધે છે, જ્યારે તમને બદામથી એલર્જી હોય, તો બદામનું દૂધ બહાર છે. જે લોકો પાસે વિશાળ અને વૈવિધ્યસભર આહાર નથી, તેમના માટે ડેરી દૂધ, આ પોષક તત્વો મેળવવાનો સૌથી અસરકારક માર્ગ બની શકે છે પરંતુ અન્ય તમામ સમાન હોવાને કારણે, આ ચાર દૂધમાંથી કોઈપણ એક સંતુલિત આહારનો ભાગ બનવા માટે પૂરતું પોષક છે. એટલા માટે ઘણા લોકો માટે, તમારા માટે જે દૂધ શ્રેષ્ઠ છે તે ખરેખર તે દૂધ છે જે ગ્રહ માટે શ્રેષ્ઠ છે. તો જે સૌથી